તમારી વિચારસરણીમાં સર્જનાત્મક બનો અને ઉપરની છબીની જેમ કંઈક જાદુ બનાવો. તમારા રૂમમાં વાદળોની જેમ ઉચ્ચારની દીવાલને રંગ કરો અને એવી જગ્યા રાખો જે એક સાથે અદભૂત અને સુખદાયક લાગે. બેડરૂમની દીવાલો માટે વાદળી અને સફેદ બે રંગનું ઉત્તમ સંયોજન છે, કારણ કે બે માત્ર સૌંદર્યની દૃષ્ટિએ મેળ ખાતા નથી પણ સમાન શક્તિઓનું ઉત્સર્જન પણ કરે છે. બેડરૂમની દિવાલો માટે પીળા અને ગ્રે કલરનું કોમ્બિનેશન એક બાળકના રૂમની દિવાલ ટકાઉ રમકડાં અને સરંજામ સાથે અડધા પીળા અને અડધા રાખોડી રંગમાં દોરવામાં આવી હતી. સુખી અને સકારાત્મક છાંયો, પીળો, બાળકના રૂમની દિવાલો પર સરસ લાગે છે. જો બાળકો પીળા રંગથી ઘેરાયેલા હોય, તો તે તેમના ચયાપચય પર અજાયબીઓનું કામ કરે છે અને તેમને સક્રિય રાખે છે. જો કે, જો ત્યાં વધુ પડતો પીળો હોય, તો તે શિશુઓને વધુ ઉત્તેજિત કરી શકે છે અને તેમને મિથ્યાભિમાન અને ચીડિયા બનાવી શકે છે. ગ્રેના શેડ સાથે સ્વરને સંતુલિત કરો, અને તમારી પાસે બે રંગ સંયોજન છે જે એકસમયે ખુશ, સ્થિર અને ભવ્ય છે. વાદળી અને કાળો બેડરૂમ દિવાલો માટે રંગ સંયોજન સ્ટેટમેન્ટ લેમ્પ અને લાકડાના એસ્ટેટિક્સ સાથે બેચલર ડેન જ્યારે કાળો અધિકૃત છે, વાદળી વિશ્વાસ છે . કાળો રહસ્યમય છે, અને વાદળી શાંત છે. ઉપરની છબીની જેમ તમારા બેડરૂમમાં શેડ્સનો સમાવેશ કરો. અને તમારી પાસે કંઈક છટાદાર અને આવકારદાયક છે. થોડી ગરમ લાઇટો ઉમેરો અને લાકડાના એસેન્સ લાવો, અને તમારી પાસે બેચલર ડેનની નજીક કંઈક છે. કાળો અને વાદળી બંનેને મેનલી રંગ માનવામાં આવે છે અને એકસાથે સારી રીતે જાય છે. મહત્વપૂર્ણ ટીપ દિવાલો પર ઘાટા રંગનો ઉપયોગ કરતી વખતે, હળવા રંગના ફ્લોર, આરસ અથવા તે તો ટેરાઝોમાં કંઈક પસંદ કરો. લીલો અને ભૂરા બેડરૂમ દિવાલો વિશાળ લીલા ઉચ્ચારણ દિવાલ સાથેનો આધુનિક બે રંગનો બેડરૂમ જો પ્રકૃતિ એવી વસ્તુ છે જે તેમને પ્રેરણા આપે છે, અથવા તમે ખરેખર તેનાથી જોડાયેલા અનુભવો છો, તો બેડરૂમની દિવાલો માટે લીલા અને ભૂરા રંગના બે રંગના સંયોજનને પસંદ કરો. તે ઝાડ જેવું દેખાતું નથી. તમે ઉપરની છબીની જેમ બ્રાઉન રંગના ગરમ શેડ્સ પસંદ કરી શકો છો અને ગરમ અને આવકારદાયક વાઇબ્સ સાથે રૂમ બનાવી શકો છો. લીલો રંગ બેડરૂમ માટે એક ઉત્તમ રંગ છે કારણ કે તે સારી ઊંઘને પ્રોત્સાહન આપે છે, માનવ આંખનો સૌથી સરળ રંગ છે. તમારા બેડરૂમમાં યોગ્ય શેડ ઉમેરો, અને તમે ફેંગ શુઇ મુજબ પૈસા અને વિપુલતાને પણ આકર્ષિત કરો. બેડરૂમની દિવાલો માટે રંગેલું ઊની કાપડ અને પીળા બે રંગનું સંયોજન. રંગેલું ઊની કાપડ અને પીળા મિશ્રણ સાથે